વિટ્રિફાઇડ ગ્લેઝને કારણે, પોર્સેલેઇન અત્યંત બિન-છિદ્રાળુ હોય છે અને રસાયણો પર પ્રતિક્રિયા આપતું નથી. તે બોન એશ અને માટીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. પોર્સેલિન અને બોન ચાઇના બ્રિટિશ ચાયવેર માટે સૌથી લોકપ્રિય સામગ્રી છે. ગ્લાસ ઉત્તમ ચાની ગોઠવણી માટે ઉત્તમ સામગ્રી છે અને તેનો ઉપયોગ ચા ઉકાળવામાં પણ થાય છે. વિટ્રિફાઇડ ચશ્મા ચાને પ્રતિસાદ આપતા નથી, પરંતુ જો તે ઓછી જાડી હોય તો ઝડપથી ગરમી ગુમાવી શકે છે. ડબલ-દિવાલોવાળા કાચના કપ વાપરવા માટે યોગ્ય છે કારણ કે તે લાંબા સમય સુધી ગરમી જાળવી રાખે છે અને ઉપયોગમાં સરળ છે. સ્ટેનલેસ સ્ટીલના કપ ખૂબ ટકાઉ હોય છે. સામગ્રી, જો કે, હંમેશા તેમની પ્રતિષ્ઠા મુજબ જીવતી નથી. સ્ટેનલેસ સ્ટીલની વસ્તુઓમાંથી લીચિંગ એક સમસ્યા છે. આનું કારણ એ છે કે ઉઝરડાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આયર્ન અને નિકલને ખોરાક અને પીણામાં લીચ થવા દે છે. તદુપરાંત, ચા રેડ્યા પછી, સ્ટીલ ઝડપથી ગરમ થઈ જાય છે, જ્યાં સુધી તે ઠંડી ન થાય ત્યાં સુધી ચા પીવી મુશ્કેલ બને છે. પ્લાસ્ટિકના ચાના કપ બજારમાં પથ્થરના વાસણો અને માટીના કપમાં ઉપલબ્ધ છે. જો કે, વ્યાવસાયિકો ક્યારેય તેમની ભલામણ કરતા નથી. જો તમે તેનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તે લીચિંગને ટાળવા માટે ઝેરી મુક્ત રીતે બનાવવામાં આવ્યા છે. નહિંતર, પ્લાસ્ટિક કપનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ટી સેટ કપનું સમાપન. સુંદર અને આનંદપ્રદ અનુભવ બનાવવા માટે સંપૂર્ણ ચા સેટ પસંદ કરવો જરૂરી છે. તમારા સ્વાદને અનુરૂપ ક્લાસિક ડિઝાઇનથી લઈને આધુનિક શૈલીઓ સુધીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. વધુમાં, સમૂહને એકસાથે મૂકવું એક કલાત્મક પ્રયાસ હોઈ શકે છે જે તમને તમારી વ્યક્તિગત શૈલી અને વિગતવાર ધ્યાન બતાવવાની મંજૂરી આપે છે. જો તમે લેખમાં આપેલી ટીપ્સને અનુસરો છો, તો તમે ઝડપથી વ્યવસ્થા ગોઠવી શકો છો અને તમારા અતિથિઓ માટે આનંદદાયક વાતાવરણ બનાવી શકો છો. તમે એક સુખદ ચા સત્રનો આનંદ માણી શકો છો જે દરેકને યોગ્ય સેટ અને ટેબલ સેટિંગ સાથે યાદ રહેશે. કિચનની વોલ ડિઝાઇન કરવા માટે શ્રેષ્ઠ કિચન પેઇન્ટ કલર આઇડિયા. રસોડાના દેખાવને કોઈપણ નવીનીકરણ વિના ફક્ત દિવાલમાં કેટલાક રંગો ઉમેરીને સુધારી શકાય છે. રસોડું ઘરનો સૌથી વ્યસ્ત ખૂણો છે, તેથી રસોડાના રંગનો રંગ એવો હોવો જોઈએ જે મૂડને ઉર્જા આપે. તેથી, અહીં પોસ્ટમાં, તમને તમારા રસોડાની દિવાલને રંગવા માટે કેટલાક સુંદર રંગ સંયોજનો મળશે. તમારી રસોડાની દિવાલને તેજસ્વી અને ચમકદાર બનાવવા માટે યોગ્ય પેઇન્ટ કલર પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.